પક્ષના દિલ્હીના વડામથક ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના અધ્યક્ષ અમિત શાહ તથા પક્ષના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે ભારતની મીક્સ રીલે ટીમે દોહા વિશ્વ ચેમ્પીયન શીપની ચાર બાય ચાર સો ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશીને ટોકીયો ઓલમ્પીક માટે ક્વાલીફાય કર્યું છે આ અકસ્માતના પગલે ચાંગચુન શેનઝાન એકસપ્રેસને ઉપર અટવાયેલો વાહનવ્યવહાર જરૂરી બચાવ કાર્યવાહી બાદ આઠ કલાક પછી ફરીથી શરૂ કરાયો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો અંગે ચર્ચા કરવા ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે દિલ્હીમાં સાંજે યોજાશે લોકોમાં તંદુરસ્તી અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેવું આયોજન કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ અંતગત સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ઇસીગારેટથી મુક્ત થવા આહવાન કર્યું છે આ બેઠકમાં બે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નોંધાવ્યું આખરી ઓપ અપાશે ચીન જીયાંગસુ પ્રાંતમાં એક ટ્રક અને બસ અથડાતા છાતીસ છત્રીસ લોકોના મોત થાય છે અને ઘણા લોકોને ઇજા થઇ છે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની એકવીસમી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ચોથી ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે ચીન જીયાંગસુ પ્રાંતમાં એક ટ્રક અને બસ અથડાતા છત્રીસ લોકોના મોત થયા છે અને ઘણા લોકોને ઇજા થઇ છે કોંગ્રેસ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક પણ આવતીકાલે યોજાશે સ્પર્ધાની ફાઇનલ આજે રમાશે સડસઠ મુસાફરોને લઇ જતી એક બસનું ટાયર ફાટતા બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતા છત્રીસ મુસાફરોના મોત થયા હતા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો અંગે ચર્ચા કરવા ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે દિલ્હીમાં સાંજે યોજાશે રાજ્યમાં તાકીદની સેવા સિવાય રાત્રીના દસથી પાંચ વાગ્યા સુધી કર્યુનો અમલ ચાલુ રહેશે બધી જ શિક્ષણ સંસ્થાઓ તથા ધર્મસ્થાનો બંધ રહેશે નેશનલ અયોધ્યા મંદિર અયોધ્યામાં આગામી પાંચમી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિરનું ભૂમિપૂજન થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગર યોજાયેલી બેઠકમાં ચર્ચાના અંતે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી બાંધકામ તથા કૃષિની બધી જ પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે નેશનલ કોરોના ટકાવારી કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સહયોગથી કોરોનાને પહોંચી વળવા પરીક્ષણ અને સારવારની રણનીતી અપનાવી છે આ સાથે દેશમાં કોરોનાની સારવાર બાદ સાજા થવાનો દર વધીને ચોસઠ ગુજરાત સરકારે કોવીડના લીધે અમલમાં મૂકાયેલા અને આવતીકાલ પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર છૂટછાટના ત્રીજા તબક્કાની માર્ગદર્શિકા જાહેર કરી છે નવા માર્ગદર્શક નિયમો મુજબ આવતીકાલથી રાજ્યમાં રાત્રી કર્યુ ઉઠાવી લેવાશે નેશનલ બિહાર પુર બિહારમાં ગંડક બાગમતી અને કમલાબલાન નદીઓમાં નવેસરથી આવેલા પુરના કારણે શિવાન અને મધુબની જિલ્લાઓમાં પુરના પાણી ફરી વળતાં હવે ચૌદ જિલ્લાઓ પુરથી અસરગ્રસ્ત બન્યા છે નેશનલ ગુજરાત કોરોના ગુજરાત સરકારે કોવીડના લીધે અમલમાં મૂકાયેલા અને આવતીકાલ પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર છૂટછાટના ત્રીજા તબક્કાની માર્ગદર્શિકા જાહેર કરી છે શ્રી જાવડેકરે કહ્યું કે આબોહવામાં પરિવર્તનની વૈશ્વિક સમસ્યા ઉકેલવા માટે ટેકનોલોજી અને આર્થિક ભાગીદારી મહત્વની ભૂમિકા ભજવી શકે છે।